તમામ કાર કાર્યમાં એક મિનિટથી વધુ ઓછો સમય લાગે છે, જેનાથી વધારો ઘણો સમય અને પ્રયત્ન બચે છે. ટેક્નોલોજી માટે આભાર, તમારે સાઈટ પર કોઈ પાદરી કે પંડિત ભૌતિક રીતે ઉપલબ્ધ હોવા જરૂરી નથી. પૂજારી વીડિયો કોલિંગ દ્વારા ઓનલાઈન ભૂમિપૂજન કરી શકે છે. નવા મકાનના બાંધકામ માટે આદર્શ પ્લોટ દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉત્તર દિશા તરફ મુખ ધરાવતો પ્લોટ નવા મકાન બનાવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. નવું મકાન બાંધવા માટે અન્ય અનુકૂળ દિશાઓમાં પૂર્વ અને પશ્ચિમ તરફના પ્લોટનો સમાવેશ થાય છે. વાસ્તુ સૂચવે છે કે દિશા શુભ માનવામાં આવતીહોવાથી નવું મકાન બાંધવા માટે દક્ષિણમુખી પ્લોટ ટાળવા. પ્લોટના મુખ્ય દરવાજાને ઉત્તર અથવા પૂર્વ દિશામાં ડિઝાઇન કરો. ભારતમાં મકાન બાંધકામ માટે શ્રેષ્ઠ સમય ઋતુ પ્રમાણે ઘરની બાંધકામ પ્રવૃત્તિની ગતિ વધે છે અથવા ધીમી પડે છે. મોટાભાગના કોન્ટ્રાક્ટરો પાનખર દરમિયાન બાંધકામ શરૂ કરવાનું પસંદ કરે છે કારણ કેઋતુમાં જમીનતો સ્થિર હોય છે અનેતો એટલી ગરમ હોય છે. આમ, પાનખર દરમિયાન માટી પર કોંકિટ રેડવું સરળ બને છે. તેથી, સપ્ટેમ્બરના અંતથી નવેમ્બર સુધીનો સમય ઘર બાંધવા માટે સારો છે. બહારનું કામ ઓછા સમયમાં પૂરું કરી શકાય છે જેથી કોન્ટ્રાક્ટરો તેમની એકાગ્રતા ઘરની અંદરના ભાગના નિર્માણમાં ફેરવી શકે. ભારતમાં ઘરના નવીનીકરણ માટેનો શ્રેષ્ઠ સમય જો તમે તમારા ઘરના આંતરિક ભાગોને એક મહાન સ્તરે નવીનીકરણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો શિયાળો એક આદર્શ સમય હશે. એક વ્યવહારુ અભિગમ છે કારણ કે મજૂરોનેમહિનાઓ દરમિયાન કામ કરવા માટે ઓછા પ્રયત્નો કરવા પડે છે. ઉનાળાના મહિનાઓમાં કામ કરવું તેમના માટે થોડું મુશ્કેલ બની જાય છે કારણ કેસિઝનમાં તાપમાન સામાન્ય રીતે ડિગ્રી સેલ્સિયસ સુધી જાય છે. જો કે, ખાતરી કરો કે તમારે કોઈપણ ખર્ચ ઓવરરન્સનો સામનો કરવોપડે. વધુમાં, અતિશય વાયુ પ્રદૂષણ ધરાવતા વિસ્તારો માટે પવનની મોસમ યોગ્ય સમય નથી. શું વસંતમાં બાંધકામ કરી શકાય છે? તમારે તમારા કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરવાની જરૂર છે કે વસંતમાં બાંધકામ કાર્ય શરૂ કરવું કે નહીં. જો જમીન ભીનીહોય, તો તે સારો સમય હોઈ શકે છે. જો કે, ભારતમાં, મોટાભાગના કોન્ટ્રાક્ટરો ઘરના આંતરિક ભાગોના બાંધકામ અથવા નવીનીકરણ માટે પ્રારંભિક વસંત પસંદ કરે છે. અને જો કોઈ પ્રોજેક્ટને તેના બાંધકામમાં મહિનાઓ લાગવાની ધારણા છે, તો માત્ર કોન્ટ્રાક્ટરો વસંતના મહિનામાં બાંધકામ કાર્ય સાથે જવાનું પસંદ કરે છે. ઉનાળાની ઋતુમાં ઘરનું બાંધકામ જો તમને લાગે કે ઘરનું બાંધકામ લાંબો સમય લેશે, તો તમારે ઉનાળાની ઋતુમાં શરૂ કરવું જોઈએ. ઉનાળામાં દિવસો લાંબા હોય છેઆમ, કામદારો સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે છે. મહિનાઓ દરમિયાન દિવસનો